અદાણીનો ક્રેઝ યથાવત રહેવાની શક્યતા. હવે તેઓ ભારતમાં વધુ રોકાણ કરવા માંગે છે. તેમણે અદાણી ગ્રૂપની કંપનીઓમાં વિશ્વાસ દર્શાવવાનું ચાલુ રાખ્યું છે અને અદાણીની કંપનીઓમાં કોઈ પણ પ્રકારનું જોખમ હોવાનો ઈન્કાર કર્યો છે. તેમને ભારતમાં ખાનગી બેંકો, આઈટી કંપનીઓ અને ગ્રાહક કંપનીઓમાં પૂરો વિશ્વાસ છે. તેમણે તેમના ઈન્ટરવ્યુ દરમિયાન એમ પણ કહ્યું હતું કે હવે ઈન્ફ્રા દેશના વિકાસમાં એક નવું સીમાચિહ્ન સ્થાપિત કરી શકે છે. અદાણી હિંડનબર્ગ વિવાદની અસર, ગૌતમ અદાણીએ કરોડનો ટોલ રોડ ખરીદવાનો સોદો રદ કર્યો. ભારતના ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેત્રમાં અદાણીનું મોટું યોગદાન. હિંડનબર્ગ રિચર્ચ રિપોર્ટ બાદ અદાણી ગ્રુપના શેરમાં ભારે ઘટાડો થયો હતો. રોકાણકારોને વિશ્વાસ સંપૂર્ણપણે ઉઠી ગયો હતો. ત્યારે રાજીવ જૈને અદાણી ગ્રૂપના શેર્સમાં તેમણે પોતાના ઈન્ટરવ્યુમાં કહ્યું હતુ કે અદાણી ગ્રુપે દેશના ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. તેમને મોદી સરકાર સાથે કોઈ લેવાદેવા નથી. તેમણે એવો પણ દાવો કર્યો છે કે મોદી સરકારના સત્તામાં રહે કે ન રહે, અદાણીની કંપનીઓની સદ્ધરતા પર કોઈ અસર થશે નહીં. આવા સ્ટોકમાં રોકાણથી કટોકટી કે મોંઘવારી વચ્ચે મળશે કમાણીનો મોકો, ડિવિડન્ડ આપતા સ્ટોક્સ મુશ્કેલીના સમયમાં રોકાણ માટે બેસ્ટ વિકલ્પ બની રહે છે. તેમાંથી મળતું રિટર્ન મોંઘવારીને માત આપવામાં સક્ષમ બનાવે છે. શેર બજાર ફરીથી પોતાની ઐતિહાસિક ઉંચી સપાટીને સ્પર્શવાનો પ્રયાસ કરી રહ્યું છે. નિફ્ટીએ લાંબા સમય બાદ અઢાર હજાર પાંચસો પચાસની રેન્જને કદાવી છે અને તેની નજર પર છે. બજારમાં તાજેતરની તેજી તેમજ સ્થાનિક અને વૈશ્વિક સ્તરે મેક્રોની સરખામણી કરતાં માર્કેટ એક્સપર્ટ્સ બજારના મૂલ્યાંકનને મોંઘું ગણાવી રહ્યા છે. બીજી તરફ, ફુગાવો, દરમાં વધારો, ભૌગોલિક રાજકીય તણાવ અને તેના કારણે સંભવિત મંદીનાં પરિબળો હજુ પણ યથાવત છે. ઘણા વૈશ્વિક બજારો હાલ દબાણ હેઠળ છે. આવી સ્થિતિમાં શેર બજારમાં સંભવિત કરેક્શનને નકારી શકાય નહીં અને આ વાત ઘણા રોકાણકારોને પરેશાન કરી રહી છે. આવી સ્થિતિમાં ઉચ્ચ ડિવિડન્ડ ચૂકવતી અને ફંડામેન્ટલની રીતે મજબૂત કંપનીઓના શેર રોકાણકારોના પોર્ટફોલિયોને સુરક્ષિત કરી શકે છે. તેઓ માત્ર ફુગાવાને હરાવવાની ક્ષમતા ધરાવતા નથી, પરંતુ તેઓ ઊંચા ડિવિડન્ડ યીલ્ડને કારણે ખરાબ સમયમાં રિસ્ક હેજિંગ કરવામાં પણ મદદ કરે છે. આ એક ઇન્ડિકેટર છે, જે દર્શાવે છે કે રોકાણકારો તેમના રોકાણ કરેલા નાણાં પર કેટલું વળતર મેળવી રહ્યા છે. અહીં અમે બ્રોકરેજ હાઉસ રેલિગેર બ્રોકિંગના હવાલાથી આવા કેટલાક સ્ટોક્સ વિશે માહિતી આપીયે છીએ, જેમના ફંડામેન્ટલ્સ મજબૂત છે અને ડિવિડન્ડ યીલ્ડ પણ ઉંચી છે.